શ્રીરામકૃષ્ણ પરમહંસ શ્રીરામકૃષ્ણ પરમહંસનું બાળપણ શ્રીરામકૃષ્ણ પરમહંસના બાળપણનું નામ ગદાધર હતું. બાળપણથી જ તેમને શાળાકીય અભ્યાસ અને દુન્યવી બાબતોમાં રસ પડતો નહિ. તેમ છતાં તેઓ ખુબ જ પ્રતિભાશાળી હતા. તેઓ સારું ગાઈ શકતા અને સારા ચિત્રકાર હતા. સાધુ સંતોની સેવા કરવી અને એમના ઉપદેશોનું પઠન કરવું તેમને ગમતું. ઘણી વખત તેઓ આધ્યાત્મિક વિચારોમાં ડૂબી જતા. તેઓ માત્ર છ જ વર્ષના હતા ત્યારે તેમને એક ગહન સમાધિનો અનુભવ થયો હતો. કાળા વાદળો આગળથી ઊડી રહેલા સફેદ બગલાઓ જોઈને તેઓ ગહન ભાવાવેશમાં સરી પડયા હતા. ઉંમર વધતા સાથે તેમની આવી ભાવાવેશ અવસ્થા પણ તીવ્ર બનતી ગઈ. તેમની સાત વર્ષની ઉંમરે તેમના પિતાનું મૃત્યુ થતાં તેઓ દુનિયાદારીથી અલિપ્ત થતા ગયા. બાળપણથી જ શ્રીરામકૃષ્ણ પરમહંસ માનતા કે પ્રત્યેક જીવમાં ઈશ્વરનો વાસ છે. તેમની જનોઈ વિધિ વખતે તેમણે એવું કહી સૌને ચોંકાવી દીધા કે તેઓ દ્વિજ તરીકેની સૌપ્રથમ ભિક્ષા ગામની એક શૂદ્ર જાતિની સ્ત્રી પાસેથી જ સ્વીકારશે. કોઈ પણ દલીલ કે આજીજી તેમનો નિર્ણય બદલાવી શકી નહિ. તેમના પિતાના મૃત્યુ બાદ તેમના મોટાભાઈ રામકુમાર તેમની આ માંગ સાથે સંમત થયા ત્યારે તેમણે જનોઈ લીધી. શ્રીરામકૃષ્ણ પરમહંસ અને બાળકો / યુવાનો શ્રીરામકૃષ્ણ પરમહંસના શિષ્યોમાં એક ગરીબ સ્ત્રી હતી. એક દિવસ તે સ્ત્રી તેના પુત્રને લઇને તેમની પાસે આવી અને વિનંતી કરી કે, "ગુરુદેવ, મારા પુત્રને રોજ મીઠાઈ ખાવાની આદત છે. તેમણે એ સ્ત્રીને બે અઠવાડિયા પછી આવવા કહ્યું. તે સ્ત્રી બે અઠવાડિયા પછી તેના પુત્રને લઇને આવી. તે વખતે શ્રીરામકૃષ્ણએ તે બાળકને રોજ મીઠાઈ ન ખાવાની સલાહ આપી અને તેની માતાની સલાહ માનવા સમજાવ્યો. બાળક તરત સંમત થઇ ગયો. બાળકની માતા અને અન્ય શિષ્યોએ ગુરુદેવને પૂછ્યું કે તેમણે શા માટે બે અઠવાડિયા પછી સલાહ આપી? શ્રીરામકૃષ્ણએ હસીને કહ્યું, "તમે જયારે બે અઠવાડિયા પહેલાં આવ્યા ત્યારે હું પોતે જ રોજ મારા શિષ્યોએ લાવેલી મીઠાઈ ખાતો હતો. આથી હું તેને આવી સલાહ કેવી રીતે આપી શકું? ત્યાર બાદ મેં મીઠાઈ ખાવાનું છોડી દીધું. આના લીધે મને તમારા બાળકને સલાહ આપવાની શક્તિ અને યોગ્યતા મળી. આપણે જે ઉપદેશ આપતા હોઈએ તે મુજબનું આચરણ કરી શકતા હોઈએ તો જ આપણા શબ્દોમાં પ્રામાણિકતા આવે અને સાંભળનારને એની અસર થાય". એક દિવસ નરેન્દ્ર નામનો એક તેજસ્વી વિદ્યાર્થી શ્રીરામકૃષ્ણને મળવા આવ્યો. અંગ્રેજી ભણતો એક આધુનિક યુવાન હોવા છતાં નરેન્દ્રને ઈશ્વરદર્શનની તીવ્ર ઝંખના હતી. તેને આ માટે મદદ કરે એવા કેટલાય સંતોને તે મળ્યો હતો. પરંતુ તેને કોઈનાથી સંતોષ નહોતો થયો. એક દિવસ તેના અધ્યાપકે શ્રીરામકૃષ્ણનો ઉલ્લેખ કર્યો અને એમને મળવા કહ્યું. જયારે શ્રીરામકૃષ્ણએ નરેન્દ્રને જોયા ત્યારે તેઓ તરત જ અનુભવી શક્યા કે ઈશ્વરે જ આ યુવાનને ઉમદા કાર્યો કરવા માટે મોકલ્યો છે. શ્રીરામકૃષ્ણ ભાવાવેશમાં આવી ગયા અને નરેન્દ્રના હાથ પકડીને રડવા લાગ્યા. એમણે નરેન્દ્રને પૂછ્યું કે તેણે એમની પાસે આવવામાં આટલું મોડું કેમ કર્યું? એમને ખુબ જ આશ્ચર્ય થયું કે કલકત્તા જેવા આધુનિક શહેરમાં આટલો બધો પવિત્ર અને આધ્યાત્મિક યુવાન હોઈ શકે? શ્રીરામકૃષ્ણએ નરેન્દ્રને એમના શિષ્ય બનાવ્યા જે સ્વામી વિવેકાનંદ તરીકે મશહૂર બન્યા!